આ મશીનો જેને ક્રોમેટિન રિમોડેલર્સ કહેવામાં આવે છે, અને તેઓ જે રીતે કામ કરે છે તે છે કે તેઓ મૂળરૂપે ડીએનએને સ્કૂટ કરે છે આ હિસ્ટોન્સની આસપાસ અને તેઓ ડીએનએના। પૂરું નામ મેટ્ટ કટ્સ છે, અને મેં લગભગ સત્તર વરસથી ગુગલ માટે કામ કર્યું છે. એક પ્રતિષ્ઠિત એન્જીનીયર તરીકે, હું એક ઉચ્ચ હોદ્દા પર હતો સીલીકોન વેલીની પ્રણાલી માં. પછી મેં થોડાક પ્રેરણાદાયી લોકોને અનુસરવા નું નક્કી કર્યું અને નાની મુસાફરી કરી ડીજીટલ સર્વિસ ની. આ એક હોશિયાર લોકોનું ટોળું છે જેણે બચાવમાં મદદ કરી જયારે વેબસાઈટ પડી ભાંગી હતી. આથી મેં ત્રણ વર્ષ થી છ મહિના ની મુસાફરીની શરૂઆત કરી , અને લગભગ ત્રણ વર્ષ પછી, હું હજુ પણ વોશિંગ્ટન ડીસી માં છું, સંઘીય સરકાર માટે કામ કરું છું, કેમકે હાલ સરકાર ને ટેકનોલોજીની જરૂરીયાત છે. મારી જૂની નોકરી પર, દરેક કક્ષમાં વિડીયોકોન્ફરન્સીંગ હતું કેલેન્ડર સાથે સંકળાયેલુ, પાવરના વાયરો પેહલે થી જ ફર્નિચરમાં નાખેલું હોઈ છે. જયારે હું સરકારી સંસ્થામાં જોડાયો, મારે એક માણસ ને બોલાવવો પડતો હતો ફોન કોન્ફરન્સ સેટ કરવા માટે. અને જયારે અમે નવી ઓફીસ માં ગયા, અમારી પાસે થોડો સમય માટે ફર્નિચર પણ ન હતું, આથી અમે કચરા પેટી પર ફોન ને સેટ કર્યો. એક વસ્તુ મને આશ્ચર્યચકિત કરે છે, જયારે પણ હું ડીસી પરત ફરું છું, કે સરકાર હજુ કેટલું કાગળ સાથે જોડાયેલી છે. આ વિન્સ્ટન-સેલમ ની જગ્યા છે, ઉત્તર કોરોલીના, જ્યાં લોકો ચિંતિત હતા કે આ બિલ્ડીંગનું માળખું નબળું પડશે આ બધા કાગળોના વજન માટે. હા. કાગળના અમુક નુકસાન છે. અહી એક ત્વરિત કોયડો છે: જો તમારું છેલું નાં, કે એના પછીથી શરુ થતું હોય, કે એના પછીના, તમે હાથ ઉચો કરશો? વાહ. મારી પાસે એક ખરાબ સમાચાર છે: તમારા પીઢ લોકોનો રેકોર્ડ નાશ પામ્યો હતો આગ માં. હા, કાગળીય કાર્યવાહી ધીમી અને ભૂલો ભરેલી છે. જો તમે પીઢ છો અને તમે જો તમારા આરોગ્ય લાભો માટે અરજી કરતા હોય કાગળના ફોર્મ થી, તમારે મહિનાઓ રાહ જોવી પડતી હતી એની પ્રક્રિયા થવા માટે. અમે તેને એક વેબફોર્મ માં ફેરવી દીધું, અને હવે મોટાભાગના પીઢોએ જાણ્યું કે તેઓ તેમના આરોગ્ય લાભો મેળવી શકે છે દસ મિનીટમાં. અહી હજુ એક લોન્ચ છે જેનો મને ગર્વ છે. અમે એક નાના વ્યાવસાયિક સંચાલન સાથે કામ કર્યુ એમની સીસ્ટમને કાગળથી ડીજીટલ માં બદલવા માં. હા ચિત્ર પેહલાનું છે, અને આ થયા પછીનું છે. એજ બેઠક, એજ લોકો, માત્ર સારી સીસ્ટમ બધા માટે. એ સમયે,